ડિવિડન્ડ શું છે? કેટલીક કંપનીઓ તેમના નફાનો અમુક હિસ્સો તેમના શેરધારકોને સમયાંતરે ડિવિડન્ડના રૂપમાં આપતી રહે છે. આવી કંપનીઓને ડિવિડન્ડ યીલ્ડ સ્ટોક્સ પણ કહેવામાં આવે છે. કંપની માટે ડિવિડન્ડ ચૂકવવું જરૂરી નથી. તે સંપૂર્ણપણે કંપનીનો નિર્ણય છે કે તે તેના શેરધારકોને ડિવિડન્ડ આપવું કે નહીં. દસ લાખ નું રોકાણ કર્યું છે. જ્યારે આ સ્ટોક્સનું વાર્ષિક વળતર પચીસ ટકા છે અને કંપનીએ રોકાણકારોને પ્રતિ શેર દીઠ આઠ રૂપિયાનું ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે. મંદીના સમયે રોકાણ કરવાની ટીપ્સ, મળતો રહેશે નફો. ડિવિડન્ડ સ્ટોક્સમાં રોકાણ કરવું જોઇએ. માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે, જ્યારે બજારમાં અનિશ્ચિતતા હોય છે, ત્યારે ઊંચા ડિવિડન્ડ ચૂકવતી અને ફંડામેન્ટલની રીતે મજબૂત કંપનીઓના શેર રોકાણકારોના પોર્ટફોલિયોને સુરક્ષિત કરી શકે છે. તેઓ માત્ર ફુગાવાને હરાવવાની ક્ષમતા ધરાવતા નથી, પરંતુ તેઓ ઊંચી ડિવિડન્ડ યીલ્ડને કારણે ખરાબ સમયમાં જોખમ સામે સુરક્ષા મેળવવામાં પણ મદદ કરે છે. રોકાણ માટે ડિવિડન્ડ આપતી એવી કંપનીઓને પસંદ કરી શકાય છે, જેમાં કોઈ નકારાત્મક પરિબળ ન હોય, ભવિષ્યનો દ્રષ્ટિકોણ પણ સારો દેખાતો હોય. લાંબા ગાળા માટે તેમાં રોકાણ કરવું સારું છે. આકર્ષક ડિવિડન્ડ ચૂકવતી કંપનીઓ તેમની બેલેન્સ શીટ પરથી ઓળખી શકાય છે. જે કંપનીઓ નફો કરતી હોય તે જ ડિડિવન્ડ ચૂકવી શકે છે. અદાણી એન્ટરપ્રાઇસે ગુજરાત અને આંધ્રપ્રદેશમાં બે ટોલ રોડ કરોડમાં ખરીદવાનો સોદો રદ કરાયો હોવાનો ખુલાસો કર્યો. અદાણી ગ્રૂપની માલિકીની દસ કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. ગૌતમ અદાણીને હિડનબર્ગ રિસર્ચ રિપોર્ટના વિવાદ બાદ ઘણા પ્રસ્તાવિત પ્રોજેક્ટને હસ્તગત કરવાની યોજના નાછુટક પડતી મૂકવાની ફરજ પડી છે. ગૌતમ અદાણી હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના વિવાદ બાદ હજી પણ સંકટનો સામનો કરી રહ્યા છે, તેના સ્પષ્ટ સંકેત તાજેતરમાં વધુ એક પ્રોજેક્ટ હસ્તગત કરવાના કરાર રદ કરવાના ઘટનાથી મળે છે. અદાણી એન્ટરપ્રાઇસ કંપનીએ સ્ટોક એક્સચેન્જે કરેલા એક ફાઇલિંગમાં જણાવ્યું કે, અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ જે તેની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે તેણે સ્વર્ણ ટોલવે પ્રાઇવેટ લિમિટેડ અને ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રા લિમિટેડની સાથે શેર પર્ચેઝ એગ્રીમેન્ટ રદ કરી દીધો છે.